એપ્રિલથી ધરણા પર છે રેસલર્સ એપ્રિલથી દેશના સ્ટાર રેસલર્સ કુસ્તી ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ સિંહ સામે મોરચો ખોલીને બેઠા છે. તેમણે બ્રિજભૂષણ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. બુધવારે રાત્રે આ પહેલવાનોની દિલ્હી પોલીસ સાથે ઝડપ થઇ હતી, આ દરમિયાન કેટલાક લોકો ઇજાગ્રસ્ત પણ થયા હતા. જંતર-મંતર પર ધરણા પર બેસનાર આ ખેલાડીનું કહેવું છે કે દેશમાં દીકરીઓ અને રમત-ગમત માટે ખૂબ જ ખરાબ સમય આવી ગયો છે. બુધવારે મોડી રાત્રે દિલ્હી પોલીસ સાથે થયેલી અથડામણ બાદ બજરંગે કહ્યું હતું કે તે સરકાર તરફથી કોઇ સન્માન જોઇતું નથી અને તે તેમને આપવામાં આવેલા એવોર્ડ પાછા લઇ લે. એપ્રિલથી ધરણા પર છે રેસલર્સ એપ્રિલથી દેશના સ્ટાર રેસલર્સ કુસ્તી ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ સિંહ સામે મોરચો ખોલીને બેઠા છે. તેમણે બ્રિજભૂષણ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. બુધવારે રાત્રે આ પહેલવાનોની દિલ્હી પોલીસ સાથે ઝડપ થઇ હતી, આ દરમિયાન કેટલાક લોકો ઇજાગ્રસ્ત પણ થયા હતા. બજરંગ પુનિયા આ ઘટના પછી ખૂબ જ ભાવુક જોવા મળ્યા હતા. બજરંગે દેશવાસીઓને કરી અપીલ બજરંગ પુનિયાએ દેશવાસીઓને જંતર-મંતર પર આવવાની અપીલ કરી છે. તેમણે એનડીટીવીને કહ્યું કે દેશ માટે મેડલ જીત્યા બાદ જો દીકરીઓ સાથે આવો ખરાબ વ્યવહાર કરવામાં આવી રહ્યો છે તો તેનો કોઈ ફાયદો નથી.